કહેવાય છે કે, શિયાળે સોરઠ ભલો, ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને કચ્છડો બારે માસ. તો ચાલો આજે આપણે કચ્છ અને તેમાંં આવેલ વિવિધ સ્થળો એટલે કે વિશે માહિતી મેળવીએ. ગુજરાતમાં આવેલ કચ્છ એટલે ભારતનો સહુથી પ્રાચીન અને વિશાળ જિલ્લો. ગુજરાતના ઇતિહાસ, પુરાતત્વ, શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના સંવર્ધનમાં કચ્છનું સ્થાન મોખરે આવે છે. પુરાણકાળમાં રાજાઓ અને સૈન્ય તો ત્યારબાદ વર્ષ બે હજાર એક માં આવેલ ભૂકંપ જેવા કુદરતી વિનાશના કારણે આ પ્રદેશ અનેક ઉથલપાથલનો ભોગ બન્યું છે, અને છતાં હંમેશા બેઠું થયું છે. મીટર માં વિસ્તરેલો પ્રદેશ એટલે કચ્છનું રણ. વરસાદી મોસમ જૂનથી સપ્ટેમ્બરમાં સમુદ્રના ક્ષાર અને પાણીથી આ પ્રદેશ ભરાય છે અને ત્યારબાદના સમયમાં બાષ્પીભવન થઈને આખો પ્રદેશ સૂકાઈ જાય છે. મીઠાના ક્ષારથી બનેલા નાના મોટા પોપડાઓથી આખી જમીન સફેદ કડક પાટ બની જાય છે, જે સફેદ રણ, કે મીઠાના રણ તરીકે ઓળખાય છે. કચ્છનો આ વિસ્તાર ભારતનો સહુથી ગરમ પ્રદેશ ગણાય છે. અંગ્રેજીમાં ડેઝર્ટ એટલે રણ કહેવાય, પણ અફાટ સફેદ પ્રદેશ વિષે અંગ્રેજીમાં પણ રણ જ લખાય છે. દુનિયામાં બે જ જગ્યાએ આ પ્રકારના રણ છે, એક કચ્છ અને બીજું બોલિવિયા. સફેદ રણ જવા માટે કચ્છ જિલ્લાના પાટનગર ભૂજ આવવું પડે. ભૂજથી સફેદ રણ આશરે સો કિલો મીટર ના અંતરે આવેલું છે. જે અનેક જોવાલાયક સ્થળો માટે જાણીતું છે. ભૂજમાં આવો એટલે ભૂજોડી ગામની મુલાકાત લેવાનું ન ભૂલાય! ભૂજોડીમાં વંદે માતરમ મેમોરિયલ અને હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક જોવાલાયક સ્થળો છે. જ્યાં કચ્છી ભરતકામ, હાથવણાટથી બનાવેલા પર્સ, ભાતીગળ કારીગરી કરેલા કાપડની ચપ્પલ-મોજડી, તોરણ, લાકડાં પરનું કોતરણી કામ, પટોળા, બાંધણીની સાડી-ઓઢણીઓ, શાલ, રણઝણતા ઝુમ્મર, ઘરસુશોભનની વસ્તુઓ વગેરે સુંદર કલાકારીના ઉત્તમ નમૂનાઓ અહીં વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. ગુજરાતની અને કચ્છની સંસ્કૃતિના હાથ કલાકારીના ઉત્કૃષ્ઠ સર્જનો માટે ભુજોડી પ્રસિદ્ધ છે. આ સિવાય ભૂજમાં પ્રાગ મહલ, આઈના મહલ, કચ્છ મ્યુઝીયમ, સ્વામિનારાયણ મંદિર, છતરડી બાગ જોવાલાયક સ્થળો છે. અઢાર મી સદીમાં બનાવેલો આઇના મહેલ નાગપંચમીની નીકળતી સવારીની, કચ્છી શૈલીના ચિત્રપટો, ગરમ પાણી માટેનું વરાળયંત્ર, પુરાણ કાળના કચ્છી ચલણના સિક્કાઓ, દસ્તાવેજો વગેરે મૂકેલા છે. આઇના મહલની બાજુમાં જ પ્રાગ મહલ આવેલો છે. પોતાનું વાહન લઈને અથવા કેબ નોંધાવીને સમયનું આયોજન કરીને ફરવા આવો તો એકથી દોઢ દિવસમાં આપ કચ્છને સાચી રીતે જાણી શકો છો. મિત્રો, લીલાછમ પ્રદેશની પોતાની ખાસિયત હોય છે તો વેરાન, ઉજ્જડ ભૂમિની પણ પોતાની ખાસિયત હોય છે. દરેક સ્થળ કંઈક કહેતું હોય છે, જો એને સાંભળવામાં ને સમજવામાં આવે તો! ભૂજથી કચ્છ તરફનો બે કલાકનો રસ્તો હરિયાળો નથી છતાં જાણે જીવનથી ભરપુર છે!